દાયકાઓ પછી, તેણીનું કામ જાળવી રાખે છે તેની જંગલી —ર્જા અને ઓ'કિફ તેણીનો વ્યક્તિગત રહસ્ય છે. આપણે બધા એક અગત્ય ની વસ્તુ ગુમાવ ગુમાવશું કે ઘૂમાવેયે છે રોજ જેની પર આપણે નિર્ભર હોય છે. હું તો ચાવી ની વાત કરું છું. મજાક હતી . સાચ્ચે તો હું આપણી એક ખુબજ અગત્ય ઈન્દ્રી વિશે વાત કરવા નો છું: દ્રષ્ટિ. દિવસ દિવસે દિવસે આપણી આંખની ધ્યાન કેન્દ્રીત કરવાની ક્ષમતા ઓછી થતી જાય જ્યાર સુધી દેખાતું બંધ ન થઈ જાય. નથી સાંભળ્યું પ્રીસબાયોપીયા વિષે, અને એવું વિચારોછો કે, આ બે અજબ લોકો છે ક્યાં? " તો હું એક હિન્ટ આપું, આ એજ કારણ છે જે થી લોકો ને વાંચન ચશ્માં કે બેતાળાં પહેરવા પડે છે. હું શરું કરીશ પુનઃ ધ્યાન માં ઘટાડો ના વર્ણન થી, જે પ્રેસબાયોપીયા તરફ લઇ જાય છે. જયારે તમે નવ જાત બાળક હોવ છો ત્યારે તમે લગભગ છ પોઈન્ટ પાંચ સેન્ટીમીટર જેટલું ધ્યાન કેન્દ્રિત કરો છો। જો તમે ઈચ્છો તો. વિસ-પચીસ વર્ષે તમારી ધ્યાન કેન્દ્રિત શક્તિ અડધી થઇ જાયે છે. લગભગ દસ સેન્ટીમીટર જેટલી, પણ એટલું કે તમે ક્યારે તફાવત ખબર ના પડે। પચાસ વર્ષે પહોંચતા, અધિકતમ પચીસ સી। એમ. જેટલું ધ્યાન કેન્દ્રિત થઇ છે, કદાચ એના થી પણ દૂર. આ સમય આના થી અધિક ઘટાડો ધ્યાન કેન્દ્રિતમાં નજીકની દ્રષ્ટિ જેમકે વાંચન શક્તિ પર અસર કરે છે, અને સાઠ વર્ષે પહોંચતા, એક મીટરના દાયરા ની અંદર નુ કંઈ સ્પષ્ટ નથી હોતું. અત્યારે અમુક લોકો હવે કદાચ એવું વિચારતા હશે કે આ ખરાબ કહેવાય પરંતુ તે તો અલંકારિક અર્થમાં કહે છે, ખરાબ તો તે લોકો માટે જેને પ્રેસબાયોપીયા થશે. પણ નહિ, જયારે હું તમે કહું, ત્યારે મારો અર્થ એમ છે કે દરેક વ્યક્તિ ને કોઈક દિવસ પ્રેસબાયોપીયા થશે અગર હમણાં નથી તો. તે થોડો અસ્તવ્યસ્થ લાગે છે. હું યાદ આપુ અપવું કે પ્રેસબાયોપીયા આપણી સાથે બધા માનવ ઇતિહાસ માં રહ્યુ છે, અને તેને ઠીક કરવા માટે અમે ઘણા ઉપાયો કર્યા છે. શરુવાત માટે, ચાલો કલ્પના કરીએ કે તમે એક ટેબલ પર બેઠા છો, વાંચો છો. અગર તમને પ્રેસબાયોપીયા છે, તે આના જેવું કંઈક દેખાશે. આનાથી કઈ પણ નજીક હશે, જેમ કે સામાયિક, તે અસ્પષ્ટ હશે। ઉકેલ તરફ વિચારીએ તો. પ્રથમ, વાંચન ચશ્મા। એમાં એક કેન્દ્રીય શક્તિ ના લેન્સ હોય. જે નજીક ની વસ્તુઓ ને ધ્યાન માં લાવે. પણ દૂર ની વસ્તુઓ તે ધ્યાન કેન્દ્ર થી બહાર કરે, જેના થી તમારે સતત ચશ્માં કાઢ મૂક કરવા પડે. આ સમસ્યા હલ કરવા